તે વિશે છે, ત્યાં લોકો છે કે ઉત્સાહિત અને ઉત્સાહિત છે અને તેમની નાણાકીય વ્યવસ્થા કરવા માટે શિક્ષિત વિરુદ્ધ લોકો કે જે નથી. તેથી જો તમે વાતચીત બદલો પુરુષો અને સ્ત્રીઓ પાસેથી ખરેખર નીચે શું છે, તો પછી તમે હોવું બંધ કરી દો. તેથી સ્ત્રીઓ માટે ઘૃણાસ્પદ અને તમે કેટલાક માણસોની સેવા કરવાનું શરૂ કરી શકો છો, તે ખરેખર શરમાળ છે તેમના નાણાકીય વ્યવસ્થાપન વિશે. હું એક બીજું ઉદાહરણ મૂકીશ. રમતવીર એથ્લેટ છે. પુરુષો અને સ્ત્રીઓ માટે આમાં ફરક નથી પડતો. તે વૃદ્ધ અને યુવાન માટે વાંધો નથી, તમે રમતવીર છો અને ક્રિયાની ક્ષણમાં અને આત્યંતિક સ્પર્ધા તમારા માટે કામ કરવા માટે તમારે આ ગિયરની જરૂર છે. તેથી આ સોકર વગાડતી સ્ત્રીઓ ધરાવે છે, તેમના સમકક્ષો સાથે ઘણું સામાન્ય છે. ક્ષેત્રની બહાર, તે વાંધો નથી. ક્ષેત્રની બહાર, તેઓ હોઈ શકે છે ફેશનમાં, અન્ય વસ્તુઓમાં, પરંતુ મેદાન પર જરૂરિયાતો અલગ નથી. તેથી આ ફક્ત થોડા ઉદાહરણો છે કેટેગરીમાં જ્યાં અમને મળી તે લિંગ શ્રેષ્ઠ સ્થળ નથી અને ખરેખર દલીલ છે. આ બિંદુએ કે તે નારીવાદી દબાણ પણ નથી, બસ, આપણે તેનો ઉપયોગ કરી લીધો છે. અમને લિંગનો ઉપયોગ કરવાની ટેવ પડી ગઈ અને તે આપણા માટે મહત્વપૂર્ણ છે. માર્ગ શોધવા માટે શરૂ કરવા માટે, ગ્રાહકો વિશે અન્ય વસ્તુઓ માપવા માટે જેથી આપણે પાછા લિંગ પર પાછા ન વળીએ. હું નિષ્કપટ નથી અને હું જાણું છું કે હજી પણ છે ભૂખ હશે અને લિંગનો ઉપયોગ કરવાની કેટલીક સરળતા, પરંતુ ઓછામાં ઓછું આ વાતચીતનું વળતર આપે છે. તમારા વ્યવસાયમાં, તમારે પૂછપરછ કરવી પડશે. શું આ ખરેખર શ્રેષ્ઠ લેન્સ છે મારા વિકાસ માટે? પરંતુ કારણ કે આ વ્યવસાય છે અને અમે ધંધો ચલાવીએ છીએ, અને અમે તેને વધવા માંગીએ છીએ ઓછામાં ઓછું પડકાર જાતિનો ઉપયોગ કરવાની તમારી પોતાની વૃત્તિ, કારણ કે આંકડા કહે છે કે તમે છો કદાચ શ્રેષ્ઠ ચલ પસંદ ન કરતા તમારા ઉત્પાદન અથવા સેવાને લક્ષ્ય બનાવવા માટે. વૃદ્ધિ કોઈ પણ સરળ નથી. તમને શું લાગે છે તે વિકાસ આવનાર છે ,બજારમાં જવાથી લિંગ જેવા જૂનાં લેન્સ સાથે? માર્કેટમાં જવાબો જેમ જૂતા લેન્સ સાથે? આ બિંદુએ, તે માત્ર નથી તમારા વ્યવસાય માટે, તે સમાજ માટે છે. આભાર. અઠવાડિયામાં બે વાર, મેક્સિકોના ટિજુઆના પાસેના મારા ઘરેથી યુ. એસ. સરહદ ઉપર, સાન ડિએગોમાં મારી ઓફિસ ગરીબી વચ્ચે તદ્દન વિરોધાભાસ અને સરહદની એક બાજુથી હતાશા અને બીજી તરફ સ્પષ્ટ સંપત્તિ હંમેશા તકરાર અનુભવે છે. પરંતુ શું આ વિરોધાભાસ બનાવે છે.